રોગ નિવારણ માટે ખૂબ મોટા ઉપાયો થશે. લોકો શાંતિ, હરિયાળી, પાણી, પક્ષીઓના અવાજ, કુદરતી અંધારું,ઠંડક,એકાંત, ઓર્ગેનિક ભોજન, ઘોંઘાટ વિનાની રજાઓ માટે પૈસા ચૂકવશે. બહાર જઈ શાંતિથી વાંચન, ચિંતન, સંગીત, મૌન,ધ્યાન, માટ યોગ માટે લોકો તરફડીયા મારશે. ભારત માં ગાયો,પશુઓની કતલ ઓછી એટલા માટે થશે કે કુદરતી ખાતર, ગેસ, વગેરે માટે તેની ઉપયોગીતા સમજાશે. ભારતમાં ગધેડા,ઘોડા સાવ ઓછા થઈ જશે. લોકો વધુ પડતા પ્રેક્ટિકલ બની ગયા હશે જેમાં લાગણી ઓછીને કામ પતાવવાની ટેવ વધુ હશે. દિવસ અને રાત મોબાઈલ અને લેપટોપના કારણે ગરદન, કમર અને આંખો ઉપર અસર થતા નવા નવા રોગો આવી ર આવી ગયા છે. માત્ર ગરીબ અને પૈસાદાર બે જ ભાગોમાં સમાજ વિભાજિત હશે. સ્વચ્છ પીવાનું પાણી ઘટી જશે તેથી બે દેશો વચ્ચે પીવાના પાણી માટે લડાઈઓ જોવા મળશે. ટેકનોલોજી ખૂબ આગળ વધી ગઈ હશે. સરકારી ફાઈલો ગાયબ થઈ હશે અને તેની જગ્યાએ સિસ્ટમ આવી ગઈ હશે. અમેઝોનના જંગલો, જે દુનિયાના તબકતા ફેફસા છે, તે ના કપાય તે માટે પગલાં લેવાશે . વિશ્વમાં ભારત અગ્રીમ નેતા તરીકે ઉપસી આવશે. ભારત નોબેલ પ્રાઇઝ સમકક્ષ વૈશ્વિક ઈનામ જાહેર કરશે. દુનિયામાં,નાછૂટકે, પાણી,જંગલો, વૃક્ષો સાચવા કડક કાયદાઓ આવશે. ભારતનો જન્મ દર પછી ઓછો થવા લાગશે. કદાચ પે વહેલો પણ શરૂ થય શકે. યુરોપ માં કેટલાક દેશો જેવાકે ફ્રાન્સ, સ્વીડન, બેલ્જિયમ, યુકે વગેરે માં સુધ સુધીમાં સ્થાનિક લોકો લઘુમતી માં આવી જશે. લંડનમાં અત્યારે સ્થાનિક ગોરાઓ લઘુમતીમાં આવી જ ગયા છે. ધર્મ આધારિત સરકારો માટે તોફાન થશે. જો ત્રીજું વિશ્વ યુધ્ધ થશે તો ઈરાન, ઈરાક અથવા મધ્ય પૂર્વ માંથી શરૂ થાય અથવા રશિયા,અમેરિકા,ચીન લડી શકે. ભારત,ચીન,અથવા ભારત- પાકિસ્તાન અથવા રશિયા,જાપાન, ચીન લડી શકે. મુંબઈ રહેવા લાયક શહેરની યાદીમાંથી નીકળી જાય તેમ બને. વિભક્ત કુટુંબો સામાન્ય બનશે. અમેરિકન સંસ્કૃતિ એશિયાની સંસ્કૃતીને ખાઈ જશે. સુધીમાં દસ લાખ થી વધુ વસ્તી વાળા શહેરોમાં મેટ્રો, મોનો રેલ ફરજિયાત બનશે. રેલ્વે માં ક્રાંતિકારી ફેરફારો આવશે. રેલવે નું ખાનગીકરણ વધશે. ટ્રક્સ, ભારે સાધનો માટે ખાસ રેલ્વે બનશે. બહુ મોટી સેવા પ્રદૂષણમાં થશે. મેગા સિટી માં અને મોટા શહેરો વચ્ચે પાટા વિનાની દોડતી મેગ્નેટિક ટ્રેન આવી જશે તેવું લાગે છે. ચીનમાં ગરબડ થાય અને નબળુ પડે તો તિબેટ યુઈ ઘર મુસલમાનો અલગ થવાની માગણી કરશે. ભારત ચીન સાથે ગુપ્ત સમજૂતી કરી પર કબજો કરે તેવું બને. ઇન્દિરા ગાંધીએ જે રીતે સિક્કિમ દેશમાં ભેળવી દીધું અને પાકિસ્તાન ના ટુકડા કરી નાખ્યાં તે રીતે પ્રધાન મંત્રી શ્રી મોદીના મનમાં કંઇક જુદા વિચારો ચાલે છે તેવું જાણકારો કહે છે. દેશ આધુનિક ખેતી, પ્રવાસન, ઓર્ગેનિક પેદાશો, અને સંરક્ષણ